કરણ સિંહ ગ્રોવર તેના બાંદ્રા એપાર્ટમેન્ટમાં અન્ય ઘણી કૌશલ્યો શોધવામાં વ્યસ્ત હતો. એકસાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા અને નવા શોખની શોધ કરતી વખતે કરણ સિંહ ગ્રોવર અને બિપાશા બા બાસુએ તેમના ચાહકોને પર તેમના પિક્સ શેર કરીને તેમના ઘરના આરામદાયક ખૂણાઓની અંદર જોવામાં મદદ કરી. બિપાશાએ તેના બેડરૂમમાં અને ક્યારેક ટેરેસ પર વર્કઆઉટ અને યોગ કરતી તસવીરો શેર કરી છે. બીજી તરફ કરણ સિંહ ગ્રોવરને પેઇન્ટિંગનો શોખ છે તેથી તે ઘણીવાર પેઇન્ટિંગ કરતી વખતે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરે છે. અને કરણના જુસ્સા માટે જગ્યા બનાવવા અને તેની કલ્પનાને વહેવા દેવા માટે બિપાશા બાસુએ તેમના માટે, તેમના માટે એક સમર્પિત જગ્યા બનાવી છે. બિપાશા બાસુના ઘરમાં ફ્લોર-ટુ-સીલિંગ વિન્ડોઝ અને પિરામિડ ડિઝાઇનની લાકડાની છત સાથે સ્ટુડિયોની જગ્યા છે. કરણ સિંહ ગ્રોવરનો સર્જનાત્મક પેઇન્ટિંગ રૂમ રૂફટોપ ગાર્ડનની બાજુમાં છે અને તેમાં અસંખ્ય કેનવાસ છે. તે લાકડાના ફર્નિશિંગ સાથેનો ખૂબ હવાદાર કાચનો ઓરડો છે. કરણ સિંહ ગ્રોવર તેના પેઇન્ટિંગ સત્રો માટે આદર્શ સ્થળ છે. બિપાશા બાસુના ઘરની છત પર ટેરેસ ગાર્ડન છે જે સાંધની કોફી ડેટનો આનંદ માણવા માટે, યોગ સ્ટુડિયો, વર્કઆઉટ સ્ટેશન અથવા ખુલ્લા કાફે તરીકે બમણું છે. ગોપનીયતા અને છાંયો પ્રદાન કરવા માટે છતની જગ્યા છોડ સાથે સ્ટાઇલ કરવામાં આવી છે. પેઇન્ટિંગ એરિયા કમ લાઉન્જિંગ સ્પેસમાં લાકડાનું ડેક છે જે તમે બિપાશા બાસુના ઘરના ચિત્રોમાં જોઈ શકો છો. બિપાશા બાસુ તેજસ્વી સન્ની દિવસે ધ્યાન કરી રહી છે. બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે લગ્નનાવર્ષ પછી તેમની છોકરીનું સ્વાગત કર્યું અને તેમની નાની દેવીનું નામ "દેવી" રાખ્યું. તેમની પ્રેમાળ પુત્રી માટે સલામતી અને આરામ સુનિશ્ચિત કરવા માટે બિપાશા બાસુના ઘર પાસે એક દિવાસ્વપ્ન અને સુંદર નર્સરી છે જે બાળકને જોઈતી દરેક વસ્તુથી સજ્જ છે. તેમના ઘરના એકંદર સૌંદર્ય શાસ્ત્રને અનુસરીને બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે તેમની પુત્રીની નર્સરી માટે પેસ્ટલ રંગો પસંદ કર્યા. નર્સરીમાં લાકડાના ઢોરની ગમાણ છે જે યુનિકોમ થીમના ઢોરની ગમાણ લટકાવવામાં આવે છે. ગુલાબી ગાદલું, ગાદલા અને સુંદર ભડકેલા પડદાઓથી શણગારવામાં આવે છે. ઉપરાંત, બિપાશા બાસુના ઘરની નર્સરીના એકંદર દેખાવ પર ભાર મૂકતા, સુંદર પ્રાણીઓ દિવાલ પર દોરવામાં આવ્યા છે. તાજેતરમાં બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે તેમની નવી વ્હાઇટ ઓડી નું સ્વાગત કર્યું. બિપાશાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો પોસ્ટ કર્યો છે.